બેટા તારી કાકીમાને મૂકીને જવાનો વિચાર છોડી દે. તું મારી કૈલાસકુંવરની એકમાત્ર નિશાની છે.." મહારાજ આગળ આવીને બોલ્યાં,"ભાણુભા મારાં પિતાજીના અપરાધની હું માફી માગુ છું. અને મારો જીવ રહેશે ત્યાં સુધી તમારો સાથ આપવાનું વચન આપું છું." વીરનું હ્નદય જરા પીગળી રહ્યુ હતું, એટલામાં વસુંધરા બોલી,"જો આ લોકોની ભૂલ ન હોય તો વીર માફ કરી દે, ભૂતકાળની કડવી યાદો ભૂલી આ બધાને તારા પોતાનાં બનાવી લે." કહીને વસુંધરા વીર સામે જોઈ બોલી,"ક્ષમા વિરસ્ય પરમ આભુષણમ." વહાલ વરસાવતા કાકીમાંના લંબાવેલ હાથ જોઈ વીર તેમનાં વ્હાલમાં તણાઈને તેનો બધો જ ગુસ્સો ઓગળી ગયો હોય તેમ જણાતાં રાજમાતા સામું જોઈ બોલ્યો,"કાકીમા રડો નહીં, હું તમને રડતાં નથી જોઈ શકતો આજ પણ. " કહેતાં જ તે કાકીમાની બાહોમાં એક નાનો બાળક બની સમાઈ ગયો અને તેની આંખોથી અશ્રૂ વહેવા લાગ્યાં. રાજમાતાએ તેને વ્હાલથી ભીંજવી દીધો. વરસો બાદ ભાણેજને ખુશ થતો જોઈ મહારાજે પણ પાસે આવી વીરનાં માથે હાથ મૂકી દીધો. મધુમતી પણ "મારાં વીર ભાઈ" કહીને વળગી પડી. આજ અદભુત નજારો હેતથી છલકતાં રાજ પરિવારમાં જોવા મળ્યો. મધુમતી પોતાની સખીની મજાક કરતાં બોલી,"સખી ભાભી આવો તમે કેમ દુર ઊભાં છો." સાંભળતાં વીર ને વસુંધરા શરમાઈ ગયાં. સહુએ નવાઈથી વસુંધરા સામું જોતાં તે શરમાઈને બહાર ભાગી ગઈ. રાજકુમારીએ પછી શાંતિથી વીરભાઈને સુવાડી સહુને વીરભાઈ અને તેની સખી વસુંધરાની પ્રેમકહાની જણાવી. સહુ પ્રસન્ન થઈ ગયાં સાંભળીને અને મહારાજ તરત જ બોલ્યાં,"હવે તો સહુથી પહેલું કામ બચપણની પરી અને ભાણુભા રાજાને પરણવાનું કરવું પડશે." રાજ મહેલમાં આનંદ છવાઈ ગયો ઢોલ, નગારાં વાગવા લાગ્યાં. નૃત્યાંગનાઓ નૃત્ય કરવા લાગી. પરીને રાજા તો મુકત મને હવે એકબીજા પર અપાર પ્રેમ વરસવા લાગ્યાં. વનવાસી રાજાને તાત્કાલિક તેડાવી ઘડિયા લગ્ન લેવાયા. ખુબ ખુશીથી પિતાએ દીકરીને કન્યાદાન આપ્યું. અને મંગળફેરા ફરી પરીને રાજા એવા હવે એક બની ગયાં. વસુંધરા વીરની બની ગઈ અને મધુમતીની સહેલી હવે તેની ભાભી બની ગઈ. પરણ્યાની પહેલી અચાનક વસુંધરાની બાંહોમાંથી જાગીને વીર તલવાર ખેંચીને બોલી ઉઠ્યો,"મારાં જેવાં વીરને આ શોભતું નથી વસુંધરા! મારાં માતા પિતાનાં હત્યારા જીવતાં છે ને હું આમ સુખ શૈયામાં કેમ પોઢી શકૂં? ધિક્કાર છે મને! હું કેવી રીતે મારાં મા બાપના હત્યારાઓને જીવતાં છોડી તારી સાથે ઢોલિયામાં પોઢી શકૂં?" વસુંધરા મલકાતી ઘૂંઘટ ઉઠાવી બોલી,"ધન્ય છે મારાં ધણીને! ભલે મોડા પણ દેહની વાસના છોડીને જાગ્યા તો ખરાં. સાચું કહું તો હું પણ એ જ વિચારી રહી